"સવલી હાલ ઝટ, બસ વાંહે વહી જાશ, હાલ બુન ઝટ," એમ બૂમ પાડતાં સલવી ના મા-બાપ માથે સામાનનું પોટલું મૂકેલ તેને પકડી બસ પકડવા દોડતા હતા. સુરત બસ સ્ટેશન પર ઊભેલી કવાંટની બસમાં બેસવા એ દોડતા હતા. સલવી રઘવાઈ થઈ માથાનો સામાન સાચવતી દોડતી બસ પાસે આવી. હોળી નજીક આવતી હોવાથી બધા મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા હતા. મુસાફરોથી બસ આખી ભરપૂર હતી. સામાન બસના પગથિયે મૂકી સવલી એ બસમાં ચઢી, જગ્યા માટે આમતેમ જોવા લાગી. ક્યાંય જગા ના દેખાઈ. હવે શું કરવું? ક્યાં બેસવું? બસના કંડકટરે એને પાછળ જવા કહ્યું. પાછળ જગ્યા નહોતી. રઘુ કાનમાં ઈઅરસેટથી સંગીત સાંભળી રહ્યો હતો, એની નજર સવલી પર પડી. તેના દેહલાલિત્યને જોતો રહી ગયો. ઈશારાથી સવલીને બેસવાનું કહ્યું. એના મા-બાપુ આગળ જગ્યા મળતા બેસી ગયા. બસે સફર શરૂ કરી. બસને કારણે બંનેના શરીર ના એકબીજા હારે અથડાતાં હતા. સવલીને શરમ આવતી હતી. એ સ્પર્શ એને મધુર લાગવા લાગ્યો. સુરતથી બસ કવાંટ પહોંચી, ત્યાર સુધીમાં બંને યુવાન હૈયા પ્રેમના બંધને બંધાતા ગયા. કવાંટ આવતાં છૂટા પડવાનું બંનેને ના ગમ્યું. "હોળીના મેળામાં મને મળીશ તું?" રઘુએ પૂછ્યું. સવલીએ શરમાતા "હા" કહી! બંને ધડકતા હૈયે છૂટા પડ્યા. કવાંટ-છોટાઉદેપુરમાં હોળીના મેળાનું ખૂબ મહત્વ છે. આદિવાસીઓ માટે આ તહેવાર દિવાળી જેવો તહેવાર છે. યુવાનો નવા વસ્ત્રો ધારણ કરે છે, શણગારેલી છત્રીઓ સાથે રાખે, સંગીત માટે પાવા પણ સાથે હોય છે. આ મેળામાં યુવાનો સાથીદારની પસંદગી કરી લેતા હોય છે, લગ્ન કરી લેતા હોય છે. સવલીની આંખોમાં પ્રેમનો નશો અંજાય ગયો હતો, મેળામાં જવાની તાલાવેલી લાગી હતી. એની બે'નપણી એને પજવતાં પૂછતી, "સવલી તું ઈ રઘુ હારે પૈણી જવાની છો?" "હોવે" શરમાતાં એ જવાબ આપતી. "પણ તારા બાપુ ઈમ નહીં કરવા દેતો?" મનમાં સવલી બોલી,"મેળેથી અમ ભાગી જશેને" દોસ્તારો હારે રઘુ મેળે પહોંચ્યો. આજ એ છેલછબીલો યુવાન લાગતો હતો. એની નજર મંદિર તરફ ખેંચાયેલી હતી, સવલીને શોધવા. મંદિરે દર્શન કર્યા બાદ, દોસ્તારો મેળો મહાલવા થનગની રહ્યા હતા, યૌવનનું પૂર ઉમટ્યું હતું. "હાલ-લા રંગલા, ત્યાં કોની વાટુ જુવેશ?" "તમ તમારે હાલો, હું થોડા ટેમમાં તમારી હારે આવી પૂગ્યો." દોસ્તારને મોકલી આપ્યા. સવલી મંદિરે આવી પૂગી. રઘુને વાંહે ઊભેલો દેખી તેની આંખો હસી પડી. બીજી બે'નપણીને મેળે મોકલી રઘુ પાંહે આવી. "સવુ આ જો, તારે હાટુ મેળામાંથી લીધું." ધોતીની ઓટમાંથી ચાંદીની વીંટી કાઢી. વીંટી જોતાં સવલી બોલી, "જુઠુ કને બોલશ? ચાંદીયુ મેળામાં થોડું મલત?" હસીને બોલી. રઘુએ તેનો હાથ પકડી